ટેટ્રિસ અને "મારિયો" જેવી રમતો સરળ કોયડાઓ અથવા ક્વેસ્ટ્સ હોઈ શકે છે પરંતુ આર્કેડ્સના ઉદય સાથે અને પછી ઇન્ટરનેટ પ્લે, અને હવે મોટા પાયે મલ્ટિપ્લેયર રમતો વિશાળ, સમૃદ્ધ સમુદાયો, રમતો મનોરંજનના એક સ્વરૂપ તરીકે ઉભરી આવ્યા છે જ્યાં વપરાશને માનવ જોડાણ ખરેખર જરૂરી છે. તો આ આપણને સ્ટ્રીમિંગમાં લાવે છે. શા માટે લોકો વિડિઓ ગેમ્સમા રચ્યા રહે છે? અને શા માટે વિશ્વભરના કરોડો લોકો તેમને જોવા માટે ભેગા થાય છે? હું ઇચ્છું છું કલ્પના કરો બધા કે તમે બીજા ગ્રહ પર ઉતર્યા છો અને આ ગ્રહ પર ત્યાં એક વિશાળ લીજો લંબચોરસ છે. અને આ લીલા લંબચોરસમાં પરાયું સરખા પોશાકમાં છે. બે પોસ્ટ વચ્ચે ચેકર ગોળાને ધક્કો મારે છે ફક્ત તેમના પગનો ઉપયોગ કરીને. તે મોટેભાગે સરખું છે, બોલ ફક્ત આગળ-પાછળ જાય છે. પરંતુ ત્યાં કરોડો લોકો ઘરેથી કોઈપણ રીતે જોઈ રહ્યાં છે, અને ખુશખુશાલ અને ઉત્સાહિત થઈ તેમની સાથે જોડાઈ રહ્યા છે. હું મારા પપ્પા સાથે રમત જોઈ મોટો થયો છું. ત્યારે મને જણાયું શા માટે સોકર મનોરંજક અને આકર્ષક છે. પરંતુ જો તમે રમતો ન જોતા, કદાચ તમને "સ્ટાર્સ સાથે નૃત્ય" જોવાનું ગમે અથવા તમે "ટોપ રસોઇયા" માણો. અનુલક્ષીને સિદ્ધાંત સમાન છે. જો કોઈ પ્રવૃત્તિ હોય કે જે તમે ખરેખર માણો છો, અન્ય લોકો તે કરતા જોઈ તમેને કદાચ ગમશે કુશળતા અને પનાચે સાથે. તે પરાયું માટે આશ્ચર્ય છે પરંતુ વહેંચાયેલ જુસ્સા પરનું બંધન બધા માનવનું છે. તેથી રમનારાઓ અપેક્ષા કરતા મોટા થયા આ જીવંત, અરસપરસ મનોરંજન, અને નિષ્ક્રિય વપરાશ માત્ર પરિપૂર્ણ તરીકે નથી લાગતું. તેથી જ જીવંત પ્રવાહ વિડિઓ ગેમ્સ સાથે ઉપડ્યા છે કારણ કે જીવંત પ્રવાહ તેના જેવી લાગણી છે. તેથી જ્યારે તમે કલ્પના કરો ટ્વિચ પર શું થઈ રહ્યું છે, હું નથી ઇચ્છતો તમે લાખો વિડિઓ ગેમ્સ વિચારો. તેના બદલે, હું ઇચ્છુ તમે લાખો કેમ્પફાયર જોવો. તેમાંથી કેટલાક બોનફાયર છે વિશાળ,બોનફાયર્સની આસપાસ હજારો લોકો. તેમાંના કેટલાક નાના છે, વધુ ઘનિષ્ઠ સમુદાય મેળાવડા જ્યાં દરેક તમારું નામ જાણે છે. તેમાંના એક કેમ્પફાયરમા બેસવાનો પ્રયાસ કરીએ હે કોહ, કેવું ચાલે છે? કોહ: અરે, કેવું ચાલે છે, એમેટ? હું અહીં પર છું મારા લગભગ મિત્રો સાથે અને અમે વિચાર્યું કે અમે આવી અને થોડો પ્રવાહ માટે તમારી સાથે જોડાશું. કોહ: અદ્ભુત! તમારી પાસેથી સાંભળી આનંદ થયો. તો કોહહ, તમે ટેડ પ્રેક્ષકોને અહી શેર કરી શકો છો. તમે શું શીખ્યા છે ટ્વિચ પર તમારા સમુદાય વિશે? કોહ: આહ, માણસ, ક્યાંથી શરૂ કરું?